તમારા નવા ઘરમાં હવન કરો ઘરની માર્ગદર્શિકા માટે વાસ્તુનું પાલન કરવું દરેક ઘરમાલિક અને ભાડૂત માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તમારું નવું ઘર વાસ્તુ સુસંગત છે તેની ખાતરી કરવાથી બધોફરક પડી શકે છે અને તમને સારું અને સમૃદ્ધ જીવન આપી શકે છે! નવા ઘર માટે વાસ્તુ ટિપ્સસ્ટડી રૂમ તમે ક્યાં તો શૈક્ષણિક અભ્યાસ કરો છો અથવા અભ્યાસ ખંડમાં વ્યાવસાયિક ફરજો બજાવો છો. વાસ્તુશાસ્ત્ર મુજબ, અભ્યાસ ખંડ માટે યોગ્ય દિશાઓ કાં તો દક્ષિણ પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ છે. દિશાઓ ધ્યાન કેન્દ્રિત કરવામાં અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. નવા ઘરમાં સ્ટોર રૂમ માટે વાસ્તુ આપણામાંના મોટા ભાગના લોકો આપણા ઘરની બધી વધારાની વસ્તુઓ સ્ટોર રૂમમાં રાખવાનું પસંદ કરે છે. ઈશાન ખૂણા સિવાય તમે નવા ઘરની કોઈપણ દિશામાં સ્ટોર રૂમ રાખી શકો છો. દરેક ઘરમાં બે પ્રકારની બેગ હોય છેએક કે જેનો આપણે સમય સમય પર ઉપયોગ કરીએ છીએ અને જેનો આપણે પૂરતો ઉપયોગ કરતા નથી અથવા બિલકુલ ઉપયોગ કરતા નથી. ઘર માટેની વાસ્તુ તમને સલાહ આપે છે કે તમે જે બેગનો પૂરતો ઉપયોગ નથી કરતા તેમાંથી છૂટકારો મેળવો. આવી બેગ તમારા ઘરમાં લાંબા સમય સુધી રાખવાથી નકારાત્મક ઉર્જાને આમંત્રણ મળે છે. સ્ટોર રૂમ માટે વાસ્તુ ટિપ્સ અવ્યવસ્થિત અને જૂના સામાનને દૂર કરવાનું સૂચન કરે છે નવા ઘર માટે વાસ્તુ ટિપ્સતમારા ઘર માટે વાસ્તુ માન્ય રંગો લિવિંગ રૂમ માટે શ્રેષ્ઠ વાસ્તુ રંગતમારા નવા ઘરના લિવિંગ રૂમમાં સકારાત્મકતા આકર્ષવા માટે તમે વાસ્તુ રંગો પસંદ કરી શકો છો જેમ કે સફેદ, ખુશખુશાલ પીળો, શાંત વાદળી અથવા લીલો. તમને શાંત અને હળવાશ અનુભવવામાં મદદ કરવા માટે તમે ઉત્તમરંગેલું ઊની કાપડ રંગ પણ લઈ શકો છો. નવા ઘર માટે વાસ્તુ ટિપ્સ મુજબ, લિવિંગ રૂમ માટે ડાર્ક કલર્સ ટાળવાનું સૂચન કરવામાં આવે છે. રસોડા માટે વાસ્તુ રંગરસોડું અગ્નિનું સ્થાન છે, અને અગ્નિના દેવને શ્રદ્ધાંજલિ આપવા માટે તમે પીળો, નારંગી, લાલ કે કેસરી જેવા રંગો પસંદ કરી શકો છો. તમારા રસોડામાં રંગોને સકારાત્મક અને ખુશખુશાલ રાખવાનો પ્રયાસ કરો અને બ્રાઉન, ગ્રે, બ્લેક અથવા અન્ય કોઈપણ ડાર્ક શેડ્સ ટાળો. પૂજા રૂમનો વાસ્તુ રંગ:પૂજા રૂમ પૂજાનું સ્થળ છે અને તે શાંતિ અને શુદ્ધતા માટે વપરાય છે, તેથી ઘર માટે વાસ્તુ રંગો પસંદ કરો જેવિસ્તારને શ્રેષ્ઠ અનુરૂપ હોય. તમે તમારા પૂજા રૂમની સુંદરતા વધારવા અને તેને વધુ શાંત અનુભવવા માટે આછો વાદળી, સફેદ, આછો લીલો જેવા રંગો પસંદ કરી શકો છો. માસ્ટર બેડરૂમ માટે વાસ્તુ રંગનવા પરિણીત યુગલ માટે હળવા ગુલાબી અથવા લાલ જેવા રંગોની ભલામણ